વધતી જતી સંખ્યામાં લોકો ઘઉં-મુક્ત આહાર પસંદ કરી રહ્યા છે. શું આપણા આહારમાંથી ઘઉંને સંપૂર્ણપણે દૂર કરવાની સલાહ આપવામાં આવે છે? વધુમાં, જો આપણે એક મહિના સુધી ઘઉંનું સેવન ન કરીએ તો શરીરમાં કેવા ફેરફારો થઈ શકે છે? લોકો વૈકલ્પિક આહાર પસંદ કરી રહ્યા છે, દાખલા તરીકે, એક મહિના સુધી ઘઉંનું સેવન ન કરવું એ સામાન્ય પ્રયોગ છે. જો કે, આપણા શરીર પર તેની અસરને ધ્યાનમાં લેવી અને ફાયદા અને ગેરફાયદાનું મૂલ્યાંકન કરવું મહત્વપૂર્ણ છે. ફાયદા: બ્લડ સુગર કંટ્રોલ કરે, શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારવામાં ઘઉંનો મોટો ફાળો છે. તમારા ડાયટમાંથી ઘઉંને દૂર કરવાથી લોહીમાં શર્કરાનું સ્તર ઘટી શકે છે, જે ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપયોગી છે. તે ગ્લુટેન સેન્સિટિવિટી અને સ્થૂળતા જેવી અન્ય પરિસ્થિતિઓને રોકવામાં પણ મદદ કરી શકે છે. પાચનમાં સુધારો કરે, આ કાર્બોહાઇડ્રેટયુક્ત ખોરાકનો વધુ પડતો ઉપયોગ આંતરડામાં અવરોધ અથવા પાચનને સુસ્ત બનાવે છે, જેના કારણે ગેસ, પેટનું ફૂલવું, ઉબકા, પેટમાં દુખાવો અને ઉલટી થઈ શકે છે. ઘઉં ઓછું ખાવાથી પાચનતંત્રને બ્રેક લાગી શકે છે. વજન ઘટાડવું, શુદ્ધ કાર્બોહાઇડ્રેટ્સ તમારું વજન વધારી શકે છે, જેમ કે સફેદ બ્રેડ, પિઝા, ક્રેકર્સ, બર્ગર, પાસ્તા વગેરે. આ ખોરાક પણ સંતૃપ્તિ પ્રદાન કરતા નથી. વધુમાં, ઘઉં-મુક્ત આહાર પર તમારી કેલરીનું પ્રમાણ ઘટશે, જે વજન કંટ્રોલ કરવામાં મદદ કરે છે. સેલિયાક રોગનું જોખમ ઘટે, ઘઉં ખાવાથી તમને સેલિયાક રોગ થવાનું જોખમ રહેલું છે, એક સ્વયંપ્રતિરક્ષા ડિસઓર્ડરનું જોખમ રહે છે, જેમાં ગ્લુટેન લેવાથી નાના આંતરડાને નુકસાન થાય છે. ગેરફાયદા:ક્રોનિક કબજિયાતનું જોખમ વધે, ઓછા પ્રોસેસ્ડ ખોરાક જેમાં ઘઉંનો સમાવેશ થાય છે તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે, જે ખાતરી કરે છે કે પાચનતંત્ર શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે. તમારા આહારમાંથી ફાઈબરયુક્ત ઘઉંને દૂર કરવાથી ક્રોનિક કબજિયાત થઈ શકે છે. વિટામિન ની ઉણપ, ઘઉં વિટામિન નો સ્ત્રોત છે. આ આવશ્યક પોષક તત્ત્વો વિના, તમારું શરીર યોગ્ય રીતે કાર્ય કરી શકશે નહીં કારણ કે આ વિટામિન ખોરાકમાંથી ઊર્જા બનાવવા અને કોષો અને પેશીઓને રિપેર કરવા અને નવીકરણ કરવા માટે જરૂરી છે. જો તમે ઘઉંનું સેવન કરતા નથી તો ઓપ્શનમાં આનું સેવન કરી શકાય: ક્વિનોઆ જે ફાઇબર, આયર્ન અને મેગ્નેશિયમ સાથેનો સંપૂર્ણ પ્રોટીન સ્ત્રોત છે, ઓટ્સ: હૃદયના સ્વાસ્થ્ય માટે દ્રાવ્ય ફાઇબર પ્રદાન કરે છે, બ્રાઉન રાઈસ: ફાઈબર અને આવશ્યક ખનિજોથી ભરપૂર છે , જુવાર અને બાજરી: ફાઇબર, એન્ટીઑકિસડન્ટો અને ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા ખનિજોથી સમૃદ્ધ ગ્લુટેન ફ્રી અનાજ અને અન્ય ગ્લુટેન ફ્રી અનાજ ફાઇબર અને આયર્ન અને મેગ્નેશિયમ જેવા મહત્વપૂર્ણ પોષક તત્વોથી ભરપૂર છે. ઘઉં-મુક્ત આહાર પાચનમાં સુધારો, ગ્લુટેન-સંબંધિત લક્ષણોથી રાહત અને ઉર્જા સ્તરમાં વધારો જેવા ફાયદાઓ પ્રદાન કરે છે. જો કે, એ નોંધવું અગત્યનું છે કે આ અસરો વ્યક્તિઓમાં અલગ અલગ હોઈ શકે છે, અને નક્કર તારણો સ્થાપિત કરવા માટે વધુ સંશોધનની જરૂર છે.